તમારા બાથરૂમની ટોચમર્યાદામાં તમને ગમતી કોઈપણ વસ્તુનું અમૂર્ત ચિત્ર હોઈ શકે છે અથવા બાકીની છત અને દિવાલોને કંટાળાજનક રહેવા માટે માત્ર યોગ્ય રંગ સાથે ડૂડલ ઉમેરવામાં આવી શકે છે. બાથરૂમની છતની પેઇન્ટિંગ આધુનિકનો સંકેત એક સુંદર સીલિંગ આર્ટ બનાવવા માટે એક રંગને બીજામાં સૂક્ષ્મ રીતે ભેળવો. ચિત્રમાં સમગ્ર જગ્યામાં વાદળી રંગની ન્યૂનતમ માત્રા હોવા છતાં, બ્લેડિંગ અદ્ભુત લાગે છે. રંગોનું મિશ્રણ આઈડી સ્પોટ-ઓન ગ્રીડ પેટર્ન ટોચમર્યાદા ગ્રીડ પેટર્નદિવાલ અને છતની ડિઝાઇન માટે અને કારણસર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ડિઝાઇન છે. તમે તેને ટ્વિસ્ટ માટે ઘણી રીતે સરળતાથી સંશોધિત કરી શકો છો અથવા તેને જેમ છે તેમ છોડી શકો છો. સરળ ગ્રીડ ટોચમર્યાદા, ફરીથી સામાન્ય હોવાને કારણે તે સર્વોપરી અને સ્થાપિત કરવા માટે સરળ છે. સૌથી ઉપર, તે તમારા બાકીના ફર્નિચર અથવા આંતરિક સાથે સંપૂર્ણ રીતે જાય છે. સરળ ગ્રીડ છત ડિઝાઇન રોયલ લુક તેથી યાદીમાં સૌથી છેલ્લું અમારી પાસે સુશોભિત છતની ડિઝાઇન છે. તે જીપ્સમ, પ્લાસ્ટર ઓફ પેરિસ અને આવી સમાન વસ્તુઓ જેવી લગભગ કોઈપણ સામગ્રીમાંથી બનાવી શકાય છે. તમે ચિત્રની જેમ, સમગ્ર છત પર એક સતત ડિઝાઇન રાખી શકો છો. અથવા વૈકલ્પિક રીતે તમે ગ્રીડ પેટર્ન માટે પણ ઘણા ચોરસ સ્લેબ પર સમાન ડિઝાઇન બનાવી શકો છો. સુંદર કોતરણી કરેલી છત બાથરૂમની ટોચમર્યાદાની ડિઝાઇન પર તેને વીંટાળવું તમારા ઘરની દરેક વસ્તુ તમારા વ્યક્તિત્વ અને તમારી પસંદ-નાપસંદ વિશે બોલે છે. વૉશરૂમની ટોચમર્યાદાની ડિઝાઇન જેટલી સરળ વસ્તુ પણ. એક સંપૂર્ણ આંતરિક પસંદ કરવામાં ઘણું બધું જાય છે અને તે ત્યારે વધુ સારું બને છે. નવા ઘરમાં સ્થાનાંતરિત થવું અથવા તમારા જૂનાને ફરીથી ડિઝાઇન કરવું, સારી ટોચમર્યાદા ચોક્કસપણે નિવેદન આપશે. બાથરૂમ ડિઝાઇન પર વધુ વાંચો, બાથરૂમ એસેસરીઝ, બાથરૂમ ટાઇલ્સ, બાથરૂમ ફ્લોર ડિઝાઇન્સ, બાથરૂમ સજાવટના વિચારો, બાથરૂમ ઇટાલિયન ટાઇલ્સ, બાથરૂમ શાવર વિચારો, કોમર્શિયલ જગ્યા માટે વોશરૂમ મિરર, ઇટાલિયન બાથરૂમ ડિઝાઇન, એપાર્ટમેન્ટ માટે બાથરૂમ ડિઝાઇન. સીડી માટે શ્રેષ્ઠ સ્ટીલ ગ્રીલ ડિઝાઇન નવીનતમ છબીઓ સાથે સીડી માટે સ્ટીલ ગ્રીલ ડિઝાઇન ઘણીવાર આવશ્યક સરંજામ તત્વોમાંની એક છે જેને મોટાભાગના લોકો અવગણતા હોય છે. દાદરની ગ્રીલ, જેને રેલિંગ પણ કહેવાય છે, તે માત્ર કાર્યાત્મક હેતુપૂરો પાડે છે અને સલામતીની ખાતરી કરે છે પરંતુ તમારા ઘરને સમકાલીન સ્પર્શ આપે છે. ઘરની સજાવટના મહત્વપૂર્ણ તત્વ પર ધ્યાન આપીને તમે તમારી જગ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરી શકો છો અને તમારા અતિથિઓ પાસેથી પૂરતી પ્રશંસા મેળવી શકો છો. જ્યારે આપણે દાદરની ડિઝાઇન વિશે વાત કરીએ છીએ ત્યારે પસંદગી માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ નથી.